છાપ આપે છે કે નાનું રસોડું મોટું અને ઓછું ગીચ છે. મોનોક્રોમેટિક કલર પેલેટનો ઉપયોગ કરવાનું ટાળવા માટે ઓછામાં ઓછા બે અથવા ત્રણ ટોનનો ઉપયોગ કરો. નાના ઘરો માટે મોનોક્રોમેટિક કિચન કેબિનેટ્સ સંપૂર્ણ ઊંચાઈ સાથે વોલ કેબિનેટ્સ નાના રસોડા માટે, સંપૂર્ણ ઊંચાઈ સાથે દિવાલ કેબિનેટ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમને નાના ઘરમાં ઉપલબ્ધ ઊભી જગ્યાએ અસરકારક રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. નાના ઘરો માટે સંપૂર્ણ ઊંચાઈના રસોડા કેબિનેટ્સ ક્રીમ વોલ માટે શ્રેષ્ઠ કર્ટેન કલર કોમ્બિનેશન, ફોલ્સ સિલિંગ લાઇટ્સ પસંદ કરવા માટેની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 લાવણ્ય અને સહનશક્તિ માટે, કેબિનેટ માઉન્ટેડ લાઇટ પ અથવા દોરડાની લાઇટ પસંદ કરો. નાના ઘરો માટે કિચન કેબિનેટ માટે એલઇડી લાઇટ્સ મોડ્યુલર એસેસરીઝ સ્ટોરેજ સ્પેસનો યોગ્ય ઉપયોગ કરવા માટે, મોડ્યુલર કિચન એક્સેસરીઝ સેટ કરો. એકવાર સ્ટોરેજ ગોઠવાઈ જાય, ત્યાં ઓછી અવ્યવસ્થા હશે અને રસોડાને સુઘડ અને સું વ્યવસ્થિત દેખાવ આપશે. ઉપરાંત, એલ-આકારના અને યુ-આકારના રસોડાના સામાન્ય રીતે અપ્રાપ્ય ખૂણાઓમાં સંગ્રહ અને ઍક્સેસ પ્રદાન કરવા માટે, ખૂણાના એકમો ખાસ કરીને અંદર અને બહાર સ્લાઇડ કરવા માટે બનાવવામાં આવે છે. નાના ઘરો માટે કિચન કેબિનેટ માટે મોડ્યુલર એક્સેસરીઝ વોલ માઉન્ટેડ કિચન કેબિનેટ્સ વોલ કેબિનેટ્સ કાર્યાત્મક અને સૌંદર્યલક્ષી આનંદદાયક છે. રસોડાનો મહત્તમ સંગ્રહતેમનો મુખ્ય ધ્યેય છે. વધુમાં, હૂડ અને એક્ઝોજેસ્ટ ફેન જેવા રસોડાના ઉપકરણોને દિવાલ કેબિનેટમાં રાખી શકાય છે. નાના ઘરો માટે વોલ-માઉન્ટેડ કિચન કેબિનેટ્સ બેઝ-માઉન્ટેડ કિચન કેબિનેટ્સ બેઝ બે કેબિનેટ, જેને ઘણીવાર બોટમ કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે, તે વારંવાર મજબૂત અને ટકાઉ હોય છે અને મોટા કાઉન્ટર્સ માટે સપોર્ટ તરીકે કામ કરે છે. તમારા રસોડાની ડિઝાઇનને ફૂટપ્રિન્ટકેબિનેટ્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે ટાઇલ્સથી ઢંકાયેલ સિમેન્ટ બેઝની ટોચ પર મૂકવામાં આવે છે. બેઝ કેબિનેટ તમારા સિંક, સ્ટોવ, ડીશવોશર, ગેસ ટાંકી અન્ય અને અન્ય સાધનોને છુપાવી શકે છે. બેઝ કેબિનેટને નક્કર સપાટી, વાસ્તવિક લાકડા અથવા આરસ અથવા ગ્રેનાઈટ જેવા અસલી પથ્થરોથી સમાપ્ત કરી શકાય છે. નાના ઘરો માટે બેઝ-માઉન્ટેડ કિચન કેબિનેટ્સ હેન્ડલ-લેસ કિચન કેબિનેટ્સ છેલ્લા દસ વર્ષમાં હેન્ડલ્સ વગરના કિચન કેબિનેટ એકદમ ફેશનેબલ બની ગયા છે. આધુનિક ડિઝાઈન,